તેથી અહીં એક ઉદાહરણ છે, જ્યાં અમે ઉંદરોને ત્રણ અઠવાડિયા સુધી ઊંચા સ્તરના તણાવના હોર્મોન્સ આપ્યા. બીજા શબ્દોમાં કહીએ તો, માનસિક ઘટક વિના જૈવિક તણાવ. અને આનાથી ડિપ્રેશન જેવું વર્તન જોવા મળે છે. જો અમે અગાઉથી ત્રણ અઠવાડિયા સુધી એન્ટીડિપ્રેસન્ટ સારવાર આપીએ, તો તેની કોઈ ફાયદાકારક અસર થતી નથી. પરંતુ જો સ્થિતિસ્થાપકતા વધારનાર દવા એક અઠવાડિયા પહેલાં આપવામાં આવે, તો તે ત્રણ અઠવાડિયાના તણાવ પછી પણ ડિપ્રેશન જેવા વર્તનને સંપૂર્ણપણે અટકાવી દે છે. આ પહેલીવાર છે જ્યારે કોઈ દવા તણાવની નકારાત્મક અસરોને, એટલે કે ડિપ્રેશન અને પોસ્ટ-ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડરને, રોકવામાં સક્ષમ હોવાનું દર્શાવવામાં આવ્યું છે. ડિપ્રેશન અને પોસ્ટ-ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર લાંબા સમય સુધી રહેતા અને ઘણીવાર આજીવન ચાલતા તબીબી રોગો છે. તેઓ પદાર્થોના દુરૂપયોગ, બેઘરપણું, હૃદયરોગ, અલ્ઝાઇમર રોગ અને આત્મહત્યાનું જોખમ પણ વધારે છે. માત્ર ડિપ્રેશનની વૈશ્વિક આર્થિક કિંમત દર વર્ષે ત્રણ ટ્રિલિયન ડોલરથી વધુ છે. પરંતુ હવે એવા દૃશ્યની કલ્પના કરો, જેમાં આપણે જાણીએ છીએ કે કોઈ વ્યક્તિ ભારે તણાવના સંપર્કમાં આવવાના ઊંચા જોખમમાં છે. માનો કે રેડ ક્રોસનો કોઈ સ્વયંસેવક ભૂકંપગ્રસ્ત વિસ્તારમાં જઈ રહ્યો છે. ટાઇફોઇડની રસી ઉપરાંત, તે વ્યક્તિને ત્યાંથી નીકળતા પહેલાં એક ગોળી અથવા ઇન્જેક્શન દ્વારા સ્થિતિસ્થાપકતા વધારનાર દવા આપી શકાય. તેથી જો તે લૂંટારાઓ દ્વારા બંદૂકની અણીએ પકડાઈ જાય અથવા કોઈ અન્ય ગંભીર ઘટનાનો સામનો કરે, તો ઓછામાં ઓછું તે પછી ડિપ્રેશન અથવા પોસ્ટ-ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર વિકસાવવાથી સુરક્ષિત રહી શકે. આ દવા તેને તણાવનો અનુભવ કરવાથી બચાવશે નહીં, પરંતુ તેને તેમાંથી સ્વસ્થ થવામાં મદદ કરશે. અને અહીં વાત ક્રાંતિકારી બને છે. સ્થિતિસ્થાપકતા વધારીને આપણે ડિપ્રેશન અને પોસ્ટ-ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર પ્રત્યેની સંવેદનશીલતાને નાટકીય રીતે ઘટાડી શકીએ છીએ, અને સંભવતઃ કોઈ વ્યક્તિને તેની નોકરી, ઘર, પરિવાર અથવા જીવન ગુમાવવાથી પણ બચાવી શકીએ છીએ. જેનરે શીતળાની રસી શોધી કાઢ્યા પછી બીજી ઘણી રસીઓ ઝડપથી વિકસાવવામાં આવી. પરંતુ ક્ષયરોગની રસી વ્યાપકપણે ઉપલબ્ધ થવામાં એકસોથી પચાસ વર્ષથી વધુ સમય લાગ્યો. શા માટે? આંશિક રીતે, કારણ કે સમાજ માનતો હતો કે ક્ષયરોગ લોકોને વધુ સંવેદનશીલ, સર્જનાત્મક અને સહાનુભૂતિશીલ બનાવે છે. અને તે માન્યતા જીવવિજ્ઞાનને બદલે વ્યક્તિના બંધારણ સાથે જોડાયેલી હતી. આ બધી રસીઓ પછી, આપણે જે દવાઓ શોધી કાઢી છે તે એક સંપૂર્ણ નવા ક્ષેત્રની સંભાવના ખોલે છે: નિવારક મનોચિકિત્સા. પરંતુ તેમાં પંદર વર્ષ લાગશે કે એકસો પચાસ વર્ષ, તે માત્ર વિજ્ઞાન પર આધારિત નથી. તે એ બાબત પર પણ આધારિત છે કે એક સમાજ તરીકે આપણે તેની સાથે શું કરવાનું પસંદ કરીએ છીએ. ગયા ઉનાળામાં, હું આસુટીયન પર્વતોમાંથી પસાર થઈ રહ્યો હતો અને ત્યાં, એક શિખર પર, મેં એક સુંદર, દૂર આવેલી પથ્થરની ઝૂંપડી જોઈ, જેના પર સોલર પેનલ્સ હતાં. અને જ્યારે પણ હું સોલર પેનલ્સ જોઉં છું, ત્યારે હું ખૂબ ઉત્સાહિત થઈ જાઉં છું.